ફોલ્સ સિલિંગ ડિઝાઇન સાથે વધુ પડતું જાઓ. બેડરૂમ માટે ઓછામાં ઓછી ડિઝાઇન પસંદ કરો જે આંખોને આરામ આપે. બેડરૂમ માટે ખોટી ટોચમર્યાદાની ડિઝાઇનનું આયોજન કરતી વખતે તમારે રૂમની ઊંચાઈ, બેડરૂમનું ફર્નિચર અને સૌથી અગત્યનું, બેડની પ્લેસમેન્ટને ધ્યાનમાં લેવી આવશ્યક છે. જો તમને ફોલ્સ સિલિંગ ડિઝાઈનમાં લાઈટો પસંદ હોય તો બેડરૂમ માટે પીઓપી ડિઝાઈનમાં લાઈટોની ગોઠવણી સારી રીતે કરવી જોઈએ. તમારે પહેલા ફોલ્સ સિલિંગ ડિઝાઇનમાં લાઇટના આકાર, રંગ અને પ્લેસમેન્ટને ધ્યાનમાં લેવું જોઈએ. આગળનું પગલું નક્કી કરવાનું છે કે તમે ફોલ્સ સિલિંગ ડિઝાઇનમાં નાની લાઇટ્સ, કેટલીક હેંગિંગ લાઇટ્સ અથવા ઝુમ્મર માટે જવા માંગો છો કે નહીં. ધ્યાનમાં રાખવાનું બીજું અગત્યનું પરિબળછે કે જો તમે વાસ્તુ મુજબ બેડરૂમ માટે પીઓપી સીલિંગ ડિઝાઇન કરી રહ્યા છો, તો તમારે ઘાટા રંગો ટાળવા જોઈએ કારણ કે તે ખરાબ નસીબ અને અવરોધો લાવે છે. સારાંશ બેડરૂમ માટે પીઓપી ડિઝાઇન તમારા આંતરિક સજાવટ માટે ઉપયોગ તમારા સપનાના ઘર માટે તમે કરેલી સૌથી સ્માર્ટ પસંદગી છે. તે સરળ, ભવ્ય અને છતાં અનન્ય લાગે છે. આર્થિક ડિઝાઇન પસંદગીઓમાંની એક. ચાહકો સાથેના શયનખંડ માટે પરંપરાગત હોય કે આધુનિક પૉપ ડિઝાઇન, તે તમારી પસંદગી અને પસંદગીઓ અનુસાર તૈયાર કરી શકાય છે. તેથી તમારી કોઈપણ વસવાટ કરો છો જગ્યા માટે પ્રભાવશાળી ડિઝાઇન બનાવવા માટે પ્લાસ્ટર સાથે પ્રયોગ કરવા માટે નિઃસંકોચ. અમે તમને કેવી રીતે મદદ કરી શકીએ? મેજિક બ્રિક્સ ઘરના માલિકોને તેમના સપનાના ઘરની કલ્પનાને વાસ્તવિકતામાં લાવવામાં મદદ કરવા માટે હોમ ઇન્ટિરિયર સેવા સાથે આવ્યા છે. તમે અગ્રણી ઇન્ટિરર ડિઝાઇનર્સ પાસેથી તેમના ક્વોટૉન્સની સરખામણી કરીને શ્રેષ્ઠ કિંમતે શ્રેષ્ઠ ડિઝાઇન પસંદ કરી શકો છો. તમારા માટે પ્રક્રિયાને સરળ બનાવવા માટે સમર્પિત સમુદાય મેનેજર સાથે વ્યવસાયિક સેવા. હમણાં મફત પરામર્શ બુક કરો હોમલેન, લિવસ્પેસ, હોમટાઉન સહિતની અગ્રણી આંતરિક બ્રાન્ડ પર સુધીની બચત કરો. ઘર માટે પીઓપી ડિઝાઇન્સ પર વધુ આધુનિક પૉપ પ્લસ માઇનસ ડિઝાઇન, લિવિંગ રૂમ પૉપ ડિઝાઇન, હોલ માટે પોપ સીલિંગ ડિઝાઇન, લોબી માટે પોપ ડિઝાઇન , ગેલેરી માટે પ્લસ માઇનસ પૉપ ડિઝાઇન. શું તમે તમારા ઘરને લેવલ કરવા માટે ઘરની બહારના કેટલાક રંગીન વિચારો શોધી રહ્યાં છો? આપણે બધાએ છેલ્લાં બે વર્ષનો મોટા ભાગનો સમય આપણા ઘરોમાં વિતાવ્યો છે જેના કારણે ચોક્કસથી આપણા ઘરોને થોડો નવનિર્માણ કરવાની તક મળી. કોઈપણ ઘરની બહારના ઘરના રંગની ડિઝાઇન અને ઘરનો રંગ એવી વસ્તુ છે જે તરત લોકોનું ધ્યાન ખેંચે છે.